રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી બે વરિષ્ઠ અધિકારીઓની તપાસ સમિતિએ ગઈકાલે બપોરે ફોરેન્સિક ટીમ અને ફાયર બ્રિગેડના અધિકારીઓ સાથે ઘટના સ્થળની મુલાકાત લઈને દુર્ઘટનાની જાત માહિતી મેળવી હતી. બંગાળના ઉપસાગરમાં સર્જાયેલ હળવા દબાણનો પટ્ટો. હવે ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાતમાં આજથી બે દિવસમાં સારો વરસાદ થાય તેવી આગાહી હવામાન ખાતા એ આપી છે. રાજ્યમાં છેલ્લાં છત્રીસ કલાકમાં લગભગ એક સો પિસ્તાલીસ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ થયો છે. અનેક ડેમ છલકાતા નદી બે કાંઠે વહી રહી છે. નાળિયેરી પૂનમનું મુહુરત સાચવીને નવસારીના ધોલાઈ બંદરેથી અરબી સમુદ્રમાં ગયેલી તમામ બોટ પાછી બોલાવી લેવાઈ છે. અમારા પ્રતિનિધિ જણાવે છે કે, યોગેશપુરીના નિધન થતા ભજન ચાહકોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જાન્યુઆરી માસમાં તેઓ કેન્સર પીડિત થયા હતા, અને અંતે ગઈકાલે પોતાના નિવાસસ્થાને તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. અત્યાર સુધીમાં એક હજારથી વધુ જાહેર કાર્યક્રમોમાં તેઓ સંતવાણી રજૂ કરી ચૂક્યા છે. અત્રે એ યાદ આપીએ કે ગઈકાલે સવારે લગભગ ત્રણ વાગ્યા બાદ નવરંગપુરાની ખાનગી શ્રેય હોસ્પિટલના ચોથા માળે આઈ બેરેજ પર છ માર્ગીય પુલ થવાથી દહેજ હાંસોટ સુરત વચ્ચેના માર્ગ અંતરમાં આશરે અઢાર કિલોમીટરનો ઘટાડો થશે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, આ યોજના દ્વારા ભરૂચ જિલ્લાની કાયાપલટ થશે. દ્વારકા મંદિરે આગામી દસથી તેરમી ઓગસ્ટ સુધી એમ ત્રણ દિવસ ભક્તોના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં થયેલી આગ દુર્ઘટનાની સઘન તપાસ શરૂ, પોલીસે હોસ્પિટલ સંચાલકની અટકાયત કરી. હવે ડિપ્રેશનમાં ફેરવાતા રાજ્યમાં આજથી બે દિવસમાં સારા વરસાદની હવામાન ખાતાની આગાહી છે. સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજથી દેશભક્તિ ને લગતી ફિલ્મોનો મહોત્સવ યોજાશે. સૌથી વધુ નેવું મીલીમીટર વરસાદ દમણ, દોલવણ, જાફરાબાદ, વેરાવળ, વિસાવદર તાલુકાઓમાં નોંધાયો છે. રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ સંગીત સિંઘ અને શહેરી વિકાસ વિભાગના અધિક સિત્તેર લાખ બ્યાસી હજાર સૌરાષ્ટ્ર કચ્છ તથા દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર પાણી પડ્યું છે. ખાનવેલ, તારાપુર, વલસાડ, સાવરકુંડલા, જૂનાગઢના માંગરોળ, માણાવદર, ભેંસાણ, અને ધોરાજી તાલુકાઓમાં સિત્તેરથી એંસી મીલીમીટર, ધાનેરા, પારડી, ગણદેવી, વાપી, બાયડ, કડાણા, ખંભાત, પ્રાંતીજ, જલાલપોર, કાલોલ, ગઢડા, માળીયમીયાણા, રાણાવાવ, મહુવા, અને જેતપુર તાલુકાઓમાં પચાસથી સિત્તેર મીલીમીટર વરસાદ થયાના અહેવાલ છે.